આવી સ્થિતિમાં ટ્રમ્પની હારથી આ બધા દેશો માટે એક મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. નવા રાષ્ટ્રપતિ પોતાની વિદેશ નીતિ જાતે જ નક્કી કરતા હોય છે. આવી સ્થિતિમાં થઇ શકે છે કે, જો બીડેન રાષ્ટ્રપતિ બને તો ટ્રમ્પના દરેક નિર્ણયની વિરૂદ્ધ નિર્ણયો લઈ શકે એવી સંભાવના છે. જો કોઈ રાજનૈતિક સંરક્ષણ એ ટ્રમ્પ પર મોહમ્મદ બિન સલમાન કરતા પણ વધારે નિર્ભર થઇ શકે છે, તો એ છે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાન. નોર્થ એટલાંટિસ ટ્રીટી ઓર્ગેનાઈઝેશન ના સહભાગી દેશ હોવા છતાં પણ તુર્કી રશિયા પાસેથી મિસાઈલ ડિફેંસ સિસ્ટમ માટે ખરીદી રહી છે. જેથી અમેરિકી કોંગ્રેસે તુર્કી પર કડક પ્રતિબંધો લગાવવાની ભલામણ કરી દીધી હતી પરંતુ ટ્રમ્પે તેને અમલ માં મુકવાની ના પડી દીધી હતી. પોતાના વ્યક્તિગત સંબંધોને લીધે જ તેમણે ટ્રમ્પને સીરિયાના કુર્દ વિસ્તારોમાં અમેરિકી સૈનિકોને પાછા બોલાવવા માટે મનાવી પણ લીધા હતા. જેના લીધે તુર્કી આ વિસ્તારો પર પોતાનું નિયંત્રણ જમાવી શકે. ટ્રમ્પે સીરિયામાં ઈસ્લામિક રાજ્યો વિરૂદ્ધ લડાઈમાં પેંટાગોન કે અમેરિકી સહભાગીઓની સલાહ લીધા વગર જ આ નિર્ણય લીધો હતો. તે લડાઈમાં બ્રિટન, ફ્રાંસ અને કુર્દ લડવૈયાઓ પણ શામેલ હતાં. જમાલ ખશોગીની હત્યાના કેસમાં જ્યારે અમેરિકી સંસદે મોહમ્મદ બિન સલમાન પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી હતી, તો તેને પણ ટ્રમ્પે વીટો પાવરનો ઉપયોગ કરી બચાવી લીધો હતો. જ્યારે બાઈડેન ગાદી આવતા અમેરિકા ઈરાન સાથે નવી સંધી કરી શકે છે. તેનાથી સૌથી વધારે નુકસાન સાઉદ્દી અરબને થશે. બાઈડેન માનવાધિકાર મુદ્દે સજાગ છે. જેથી મોહમ્મદ બિન સલમાનની મુશ્કેલીઓ વધી શકે છે. તાજેતરના દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ ચીન તરફ ખુબ વધારે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તે ચીની વસ્તુઓ પર ટ્રેરિફ વધારી રહ્યાં છે. જ્યારે ચીનના દુશ્મન દેશોને હથિયારો અને ગુપ્ત જાણકારીઓ પણ આપી રહ્યાં છે. તેમ છતાંયે ચીની અધિકારીઓએ કહ્યું છે કે, સંતુલનના કારણે તેમનું નેતૃત્વ ટ્રમ્પને જ રાષ્ટ્રપતિ તરીકે લાવવા માંગે છે.